ફળો, શાકભાજી, ખેતરો અને શાંત પ્રકૃતિના દ્રશ્યો આદર્શ નિરૂપણ છે. ટેબલને તાજા ફૂલો અને તેજસ્વી ટેબલક્લોથથી સજાવો. તિરાડ અથવા ક્ષતિગ્રસ્ત ચીનનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. ખાતરી કરો કે ટેબલ પર ઘણી બધી અનિચ્છનીય વસ્તુઓ નથી. આકાર: ગોળાકાર અથવા અન્ય કોઈપણ અનિયમિત આકાર ધરાવતું ડાઈનિંગ ટેબલ ટાળવું જોઈએ. ડાઇનિંગ રૂમ વાસ્તુ સ્થિરતા અને સતત હકારાત્મક ઊર્જા પ્રવાહ પ્રદાન કરવા માટે ચોરસ અથવા લંબચોરસ આકારનું ડાઇનિંગ ટેબલ પસંદ કરવાની ભલામણ કરે છે. ડાઇનિંગ ટેબલનો અનિયમિત આકાર ટાળવો જોઈએ. નારંગીની હાજરી. ડાઇનિંગ રૂમ વાસ્તુ મુજબ નારંગી રંગની હાજરીની ખૂબ ભલામણ કરવામાં આવે છે. નારંગી એક રંગ છે જે શક્તિ, આધ્યાત્મિકતા, આનંદ, આશાવાદ અને સારા સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. તમે તેને દિવાલ પેઇન્ટિંગ, ટેબલ રનર અથવા ડાઇનિંગ સીટ કવરના રૂપમાં સમાવી શકો છો. નારંગી સેટિંગ. લીલાનો ઉપચારાત્મક સ્પર્શ. લીલો આશાનો રંગ છે. તે ઉપચારાત્મક, શાંતિપૂર્ણ અને ઉત્થાનકારી વાતાવરણ પૂરું પાડે છે. આમ, ડાઇનિંગ રૂમ વાસ્તુ અનુસાર લીલા રંગના કોઈપણ શેડનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. પછી તે બોટલ ગ્રીન, લાઇટ ગ્રીન કે સી ગ્રીન હોય. યાદ રાખો કે તેને કોઈપણ રંગો સાથે વધુ પડતું ન કરો. સ્વાસ્થ્યપ્રદ આહાર માટે ક્રીમ અથવા બેજ સાથે શાંતિને આમંત્રણ આપો. તટસ્થ રંગો પરિવારની શાંતિ, સમૃદ્ધિ અને શુદ્ધતા દર્શાવે છે અને તેનો ઉપયોગ કોઈપણ સેટિંગમાં થઈ શકે છે અને કોઈપણ સરંજામ સાથે કામ કરે છે. તમે રંગ યોજનાનો ઉપયોગ કરી શકો છો અથવા તેને નારંગી, વાદળી અથવા લીલા રંગછટા જેવા પેસ્ટલ રંગો સાથે જોડી શકો છો. તટસ્થ સેટિંગ. આછો ગુલાબી, પ્રેમનો રંગ. રોઝી પિંક શેડ્સ પ્રેમ દર્શાવે છે. જો કે તે બેડરૂમમાં ખૂબ લોકપ્રિય છે, ડાઇનિંગ રૂમમાં હળવા ગુલાબી રંગના સ્પ્લેશ અજાયબીઓ કરી શકે છે, ડાઇનિંગ રૂમ વાસ્તુ કહે છે. તે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને પરસ્પર આદર અથવા પ્રશંસાને પ્રોત્સાહન આપે છે. તદ્દન સૌંદર્યલક્ષી પણ લાગે છે. ગુલાબી તત્વો. છોડ. ડાઇનિંગ રૂમ વાસ્તુ ડાઇનિંગ એરિયામાં તાજા ફૂલો અથવા છોડની હાજરીને પ્રોત્સાહન આપે છે. તમે ડાઇનિંગ ટેબલ પર ફૂલ મૂકી શકો છો કારણ કે તે ઘરની બધી નકારાત્મક ઊર્જાને શોષી લે છે. સમાન અસર માટે તમે વાંસના છોડને પણ ધ્યાનમાં લઈ શકો છો. સારા વાઇબ્સ લાવો. સામગ્રી. કાચનું ટેબલ પારદર્શિતાની ભાવના વધારે છે. વાસ્તુ અનુસાર, પથ્થરની કોષ્ટકો પૃથ્વીના તત્વોને